અમે માલિક પાસે પ્રતિબદ્ધતાની ખાતરી લીધી અને કામદારોને ખાતરી આપી. બાદમાં તેઓ શુક્રવાર સવારથી ફરીથી કામ શરૂ કરવા સંમત થયા. પડકારો એક અંદાજ મુજબ, વિશ્વના દર અગીયાર હીરામાંથી આઠ સુરતમાં પોલિશ થાય છે. લક્ઝરી પ્રોડક્ટમાં ઊંડું રોકાણ કર્યું, જેનું બજાર મહામારી પછી ધીમે ધીમે પુનઃજીવિત થઈ રહ્યું હતું, શહેર મંદી તરફ જોઈ રહ્યું છે, આ વખતે ગયા વર્ષે શરૂ થયેલા રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે, ઘણા કારખાનાના માલિકોએ અનપેક્ષિત રીતે વીસ થી પચ્ચીસ દિવસની લાંબી ઉનાળાની રજાઓ જાહેર કરી હતી. આ સામાન્ય પાંચ થી દસ દિવસ કરતાં બમણું હતું. એપ્રિલમાં જાહેર કરાયેલા રશિયાની રાજ્ય સંચાલિત હીરાની ખાણો પર યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા પ્રતિબંધોને કારણે રફ હીરાના પુરવઠામાં ઘટાડો થયો છે, ઘણા કારખાનાના માલિકોએ ઉત્પાદનને નિયંત્રિત કરવા માટે કામના કલાકોમાં ઘટાડો કર્યો છે. સ્થળાંતરની વાર્તા, સુરતમાં હીરાના ઉત્પાદન અને વેપાર ઉદ્યોગમાં પ્રવાસી પાટીદારોનું પ્રભુત્વ છે, જેઓ મૂળ સૌરાષ્ટ્રના ખેડૂતો છે અને મુખ્યત્વે ભાવનગરના પાલિતાણા અને બનાસકાંઠાના પાલનપુરના જૈનો છે. હનિફ મલિક તેમણે કેટલાક હીરાના કારખાનામાં કામ કરવાનું શરૂ કર્યું. જૈન પોલિશ્ડ અને રફ હીરાના વેપારમાં સામેલ થયા. જો કે હાલમાં હીરાના વેપાર અને ઉત્પાદનમાં જૈનો કરતાં પાટીદારોની સંખ્યા વધુ છે. હીરાના વેપારી શહેરમાં વિવિધ ચેરીટી સંસ્થાઓ પણ ચલાવે છે. " તેઓ મુખ્યત્વે વરાછા અને કતારગામ વિસ્તારો અને કામરેજ, વેલંજા અને પાસોદરા જેવા અન્ય વિસ્તારોમાં સ્થાયી થયા છે. બેંકે તાજેતરમાં છવ્વીસ વર્ષ પૂર્ણ કર્યા છે. ભલ્લાલા કહે છે કે, સૌરાષ્ટ્રથી સ્થળાંતર કરનારાઓ "સુરતમાં એટલા હળીભળી ગયા છે કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમના પાંચ ધારાસભ્યો અને ત્રીસ કોર્પોરેટરો છે. " "તેઓ રાજકીય અને આર્થિક રીતે શક્તિશાળી છે અને સુરત શહેરમાં તમામ પ્રકારના વ્યવસાયોમાં ફેલાયેલા છે. સમુદાય સાથે સંકળાયેલા લોકો બ્લડ બેંક, કિરણ હોસ્પિટલ, અને અન્ય હોસ્પિટલો, એક ડીમ્ડ યુનિવર્સિટી, એક મેડિકલ કોલેજ અને એક પુસ્તકાલય ચલાવે છે. જે સુરત શહેરમાં ખીલે છે અને સમાજને પાછું આપવાનું વલણ ધરાવે છે, આમ તેઓ શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. " આવી જ એક હિજરતની વાર્તા સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુભાઈ વેકરિયાની છે. સૌરાષ્ટ્રના અમરેલીના હરીપર ગામના લેઉવા પાટીદાર વેકરિયા ઓગણીસસો પાંસઠમાં સુરત આવ્યા હતા, જ્યારે તેઓ માત્ર ચૌદ વર્ષના હતા. ધોરણ સાત પછી શાળા છોડ્યા પછી, તેમણે હીરાના કારખાનામાં કામ કરવાનું શરૂ કર્યું. વેકરિયા કહે છે કે, પાંચ વર્ષ કામ કર્યા પછી, મેં ઓગણીસસો એકોતેરમાં ચાર એમરી વ્હીલ્સ અને અઢાર કામદારો સાથે એક નાનું કારખાનું શરૂ કર્યું. ઉત્પાદન વ્યવસાય બંધ કરતા પહેલા, મારી ફેક્ટરીમાં સો એમરી વ્હીલ્સ અને લગભગ પાંચ સો લોકો હતા. આ પછી સારો નફો જોઈને હું વ્યવસાયિક પ્રવૃત્તિઓ તરફ વળ્યો. આજે મારી સુરત અને મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મારી ટ્રેડિંગ ઓફિસ છે.